અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દસ રાજ્યો પ્રતિ કેન્દ્રશાતિત પ્રદેશોમાં, દરમિયાન હેઠળ વહીવટી ખર્ચ માટેના ભંડોળનો ઉપયોગ "અસ્વીકાર્ય વસ્તુઓ" પર કરવામાં આવ્યો હતો. જેમાં માનદ વેતન, વાહનવ્યવહાર વગેરેનો સમાવેશ થતો હતો. ભારત માટે આ સેમીકન્ડક્ટ પ્રોજેક્ટ કેમ મહત્વપૂર્ણ છે: અનિલ અગ્રવાલની વેદાંતા કંપનીએ તાઇવાનની ફોક્સકોન સાથે મળીને ભારતનો પ્રથમ ચીપ પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, તેમાં મોટા અવરોધો સર્જાયા છે. ગુજરાતમાં ભારતનો પહેલો સેમીકન્ડક્ટર ચીપ પ્લાન્ટ સ્થાપવાની વેદાંતા રિસોર્સેઝ કંપનીની યોજના પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. ગુજરાતમાં આ ચીપ પ્લાન્ટની સ્થાપના માટે ભારતીય ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની વેદાંતા કંપનીએ તાઇવાનની એટલે કે ફોક્સકોન સાથે ભાગીદાર કરાર કર્યા હતા. જો કે અમુક કારણોસર આ પ્લાન્ટને સ્થાપવા મામલે હાલ કોઇ નોંધપાત્ર પ્રગતિ થઇ શકી નથી. અલબત્ત અત્યાર સુધી કોઇ ફેબ્રિકેશન યુનિટ ઓપરેટર કે લાઇસન્સ મેન્યુફેક્ચરિંગ ગ્રેડ ટેકનોલોજીની સાથે વાતચીત સફળ થઇ નથી. સરકાર પાસેથી નાણાંકીય સહાયતા મેળવવા માટે તેમાંથી કોઇ એકની જરૂર પડે છે. નોંધનિય છે કે, વેદાંતા એક મેટલ અને માઇનિંગ કંપની છે જ્યારે ફોક્સકોન આઇફોન એસેમ્બલ કરતી કંપની છે. આમ વેદાંતા અને ફોક્સકોન બંનેમાંથી કોઇ એકની પણ પાસે સેમીકન્ડક્ટર કે ચીપ અંગેની નિપુણતા નથી. ઉપરાંત નાણાંકીય મુશ્કેલીનો સામનો કરી રહેલી વેદાંતા કંપનીએ સરકાર તરફથી પણ ફિ ફંડિગની આવશ્યકતા છે. કારણ કે આ પ્રોજેક્ટમાં જંગી મૂડીરોકાણની જરૂર છે. કંપનીએ પ્રોજેક્ટ કોસ્ટ વધારે દેખાડી. ભારતમાં પહેલો ચીપ પ્લાન્ટ સ્થાપવામાં સૌથી મોટી મુશ્કેલી નાણાંકીય ભંડોળની ઉપલબ્ધતા છે. ભારત ભાવ સંવેદનશીલ બજાર છે અને યુક્રેન કટોકટી પછી ગેસ બજાર તંગ રહેવાની શક્યતા છે. રિન્યુએબલ એનર્જી, કોલસો અને તેલ જેવા વિકલ્પોના ભાવો સામે ગેસના ભાવ સ્થાનિક ઉત્પાદકો અને વપરાશકર્તાઓ માટે અપ્રિય રહ્યા હતા, ત્યારે સ્થાનિક ગેસ વપરાશ માટે આયાત પરતી નિર્ભરતા બાવીસમાં વધીને અડતાલીસ ટકા થઈ હતી જે બાર માં અઠ્ઠાવીસ ટકા હતી. ગેસ એ ખાતર ક્ષેત્ર માટે મુખ્ય ફીડસ્ટોક છે, તે ઉપરાંત થર્મલ પાવર એકમો માટે બળતણ છે, અને રસોઈ માટે ઓટો ફ્યુઅલ અને પાઇપ્ડ ગેસ તરીકે તેનો અંતિમ ઉપયોગ છે. એનર્જી મિક્સ ટાર્ગેટને હાંસલ કરવામાં અન્ય એક મોટી અવરોધ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અડચણ જેમ કે ગેસ ગ્રીડ, પાઈપલાઈન, ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને વધુ અગત્યનું.